જ્યાથી પસાર થવાનુ હતુ એ જગ્યા બર્મુડા ત્રિભંગમાં આવતી હતી. પાંચ પાઇલોટ ઉડાનના એક કલાક પછી કંટ્રોલરૂમને એવો સંદેશો આપ્યો કે તેઓ નુ હોકાયંત્ર કામ કરતુ બંધ થઈ ગયુ છે. અને તેઓ ક્યાય અટવાઇ ગયા છે. રોબર્ટ કાક્સ કે કહ્યુ કે તેઓ કોઇ નાનકડા ટાપુ ઉપર ઉડી રહ્યા છે. આ સિવાય તેઓને ક્યાય જમીન દેખાતી નથી પણ તપાસ દરમ્યાન એવુ પણ જાણવા મળ્યુ કે તેઓ પોતાના નક્કિ કરેલા રૂટ ચાલ્યા ન હતા અન્યથા તેઓને અનેક ટાપુઓ જોવા મળ્યા હોત. ત્યાર બાદ આજ સુધી પાંચેય પ્લેનનો કોઇ ભાગ કે પાઇલટની લાશો કઈ પણ આજ સુધી મળ્યુ જ ન હતુ. કેટલાય મહિના સુધી તપાસના અંતે એવો રીપોર્ટ કરવામાં આવ્યો કે આ ઘટના પાઇલોટના માર્ગ ભટકવાથી થઈ છે. આ ઘટના પછી જ દુનિયાની સામે આવ્યો બર્મુડા ટ્રાયેન્ગલ. હોકાયંત્રની વિસંગતતા અંગેનો દાવો હોકાયંત્ર દિશા ભટકી જવાની ઘટના આટ ટ્રાયેન્ગલ પર બને છે. આ ઘટનાને સામાન્ય ઘટના તો ન જ ગણી શકાય પણ પૃથ્વી પર પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યા ગુરુત્વાકર્ષણ બળ વિરુધ્ધ કાર્ય કરે છે. ઘણીવાર વાંચ્યુ કે એક જગ્યા એવી છે. જ્યા તમે ઢાળમાં ગાડી મુકી દો તો ઓટોમેટીક ઉપર ચડતી જણાય આ એક ચુંબકિય ક્ષેત્રથી પ્રભાવિત જગ્યા જ છે. સ્પેન્સર લિંબો ઓફ ધ લાસ્ટ, ધ બરમુડા ટ્રંગલ, ધ ડેવિલ્સ ટ્રેંગલ્સ જેવા અનેક લેખ અને પુસ્તકો પ્રસારીત થઈ ચુકયા છે.